તેના બદલે તે એક રોબોટ છે ખાસ કરીને એક જ કાર્ય માટે બનાવવામાં. રોબોગેમિસ મલ્ટિટાસ્ક કરવા માટે ઓપ્ટિમાઇઝ છે. અને આ એકદમ મહત્વપૂર્ણ છે મુશ્કેલ અને અનન્ય માટે પૃથ્વી પર પર્યાવરણો તેમજ અવકાશમાં. તમારી પાસે પરવડી શકે તેમ નથી એક કાર્ય માટે એક રોબોટ. કોણ જાણે કેટલા કાર્યો તમે અવકાશમાં સામનો કરશે? તમને જે જોઈએ છે તે એક રોબોટિક પ્લેટફોર્મ છે જે મલ્ટિટાસ્ક કરવા માટે પરિવર્તન લાવી શકે છે. આપણે જે જોઈએ છે તે એક ડેક છે પાતળા રોબોગામી મોડ્યુલો જે ગુણાંકમાં રૂપાંતર કરી શકે છે કાર્યો કરવા. અને મારો શબ્દ તેના માટે ન લો કારણ કે યુરોપિયન સ્પેસ એજન્સી અને સ્વિસ સ્પેસ સેન્ટર આ ચોક્કસ ખ્યાલને પ્રાયોજિત કરી રહ્યા છે. તેથી અહીં તમે છબીઓ એક દંપતિ જુઓ રોબોગેમિસના વિદેશી જમીન અન્વેષણ સપાટી પર. તેમજ સપાટી પર ખોદવું તે માત્ર સંશોધન જ નથી. અવકાશયાત્રીઓ માટે તેમને વધારાની સહાયની જરૂર છે કારણ કે તમે પોસાઇ શકતા નથી ત્ત્યાં ઇન્ટર્ન લાવવા. તેઓએ દરેક કંટાળાજનક કાર્ય કરવું પડશે. તેઓ સરળ હોઈ શકે છે પરંતુ સુપર ઇન્ટરેક્ટિવ. તેથી તમારે રોબોટ્સની જરૂર છે તેમના પ્રયોગોને સરળ બનાવવા માટે. પરંતુ તેઓ કેવી રીતે સક્ષમ હશે રોબોગેમિસને નિયંત્રિત કરવા માટે ઉદાહરણ તરીકે સ્પેસ સ્ટેશનની બહાર? આ કિસ્સામાં હું રોબોગામી બતાવીશ કે જગ્યા ભંગાર ધરાવે છે. તમે તમારી દ્રષ્ટિથી કામ કરી શકો છો જેથી તમે તેમને નિયંત્રિત કરી શકો. અને તમને જેની જરૂર છે તે હેપ્ટિક ડિવાઇસ છે. હેપ્ટિક ઇન્ટરફેસ જે ફરીથી બનાવે છે સ્પર્શની સંવેદના. અને રોબોગેમિસનો ઉપયોગ કરીને અમે આ કરી શકીએ છીએ. આ વિશ્વની છે સૌથી નાનો હેપ્ટીક ઇન્ટરફેસ જે સ્પર્શની સંવેદનાને ફરીથી બનાવી શકે છે ફક્ત તમારી આંગળીના નીચે. અમે રોબોગામીને ખસેડીને કરીએ છીએ માઇક્રોસ્કોપિક અને મેક્રોસ્કોપિક દ્વારા તબક્કે હલનચલન. અને આ રાખવાથી શું તમે અનુભવી શકશો? એલેક્સ પાસે આ ઇન્ટરફેસ છે તેના અંગૂઠાની નીચે જ અને જો તે આનો ઉપયોગ કરશે વી.આર ગોગલ્સ અને હેન્ડ કંટ્રોલર્સ સાથે, હવે વર્ચુઅલ વાસ્તવિકતા હવે તે વર્ચુઅલ નથી. તે મૂર્ત વાસ્તવિકતા બની જાય છે. વાદળી બોલ, લાલ દડો અને કાળો બોલ જે તે જોઈ રહ્યો છે હવે રંગોથી અલગ નથી. હવે તે રબરનો વાદળી બોલ છે, સ્પોન્જ લાલ બોલ અને બિલિયર્ડ બ્લેક બોલ. આ હવે શક્ય છે. ચાલો હું તમને બતાવીશ. ખરેખર આ પહેલી વાર છે આ જીવંત બતાવવામાં આવ્યું.